તે વધુ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને ખુલ્લી અને જગ્યા ઘરાવતી લાગણી લાવે છે. લીલો કુદરતનો રંગ છે જે આંખને સુખ આપનારો છે અને પ્રકૃતિનો વાઇબ લાવે છે. તે તાજગી, આશા અને સર્જનાત્મકતા દર્શાવે છે અને આમ લિવિંગ રૂમ અને બેડરૂમ માટે આદર્શ રંગ બનાવે છે. નિસ્તેજ ગુલાબી આનંદ, નિર્દોષતા અને માયાનું પ્રતીક છે. જે તેજવી જે તેજસ્વી લાલ રંગનું આરામદાયક સંસ્કરણ છે જે વસવાટ કરો છો ખંડ અને શયનખંડમાં સફેદ યોજનાઓ સાથે જોડવામાં આવે ત્યારે સંપૂર્ણ લાગે છે. પ્રકાશ વાદળી, અછો આછો વાદળી રંગ પાણીયુક્ત સમુદ્ર અને વિશાળ અને ખુલ્લા આકાશનું ચિત્રણ કરે છે. નિસ્તેજ બર્ફીલા, એફ્વામેરિન અથવા અન્ય કોઈ આછો વાદળી છાંયો ઉપચાર, વૃદ્ધિ અને નવી શરૂઆતનો સંકેત આપે છે. પીળો રંગ છે જે આશા, આનંદ અને યુવા સ્વભાવનું પ્રતિનિધિત્વ છે અને શાણાપણ, ધૈર્ય અને શક્તિ દર્શાવે છે. આદર્શ રંગ થીમ બનાવવા માટે તમે તેને ગુલાબી, લીલો અથવા વાદળી સાથે મેચ કરી શકો છો. આછો જાબલી લવંડર અને નિસ્તેજ ગુલાબી જેવા રોમાંસ અને વીરતાનો રંગ છે. તે શાણપણ અને અધ્યાત્મિકતા દર્શાવે છે અને આમ લિવિંગ રૂમ અને બેડરૂમ માટે સંપૂર્ણ રંગ બનાવે છે. સી ગ્રીન, સમુદ્ર લીલો પ્રકૃતિનો બીજો રંગ છે અને તાજગી, નસીબ અને નિર્દોષતાનું પ્રતિનિધિત્વ કરે છે. સકારાત્મક અને આરામદાયક વાઇબ્સ લાવવા માટે તેને તમારા લિવિંગ રૂમ અથવા બેડરૂમમાં સામેલ કરો. સારાંશઘરના આંતરિક રંગના સંયોજનના વિચારો ઉપર જણાવેલ ઘરના આંતરિક રંગના વિવિધ સંયોજનો સાથે હવે તમે તમારા સપનાના ઘરને કેવી રીતે રંગિત કરી શકો છો તે વિશે તમને સ્પષ્ટ ખ્યાલ છે. તમારા ઘર, વાણિજ્યિક, ઓફિસની જગ્યાઓ, દુકાનો વગેરેને પેઇન્ટિંગ કરતી વખતે તમારે તમારા સ્વાદ, જરૂરિયાતો અને સૌંદર્યલક્ષી સૂઝને ધ્યાનમાં રાખવી જોઈએ. અમને આશા છે કે ઘરના આંતરિક રંગ સંયોજનોની અમારી ક્યુટને ક્યુટરેટ સૂચિ તમારા માટે મદદરૂપ થશે અને તમને પસંદ કરવા માટે પૂરતા વિકલ્પો આપશે. તમારે ફક્ત વિવિધ સ્થળો માટે વિવિધ રંગછટા સાથે થોડું રમવાની જરૂર છે અને અંતિમ પરિણામ તમને આશ્ચર્યમાં મૂકી દેશે.